મણિપુરસંશોધન મણિપુરમાં વિધાનસભાના અધ્યક્ષ યૂનમ ખેમચંદસિંહે આજે કોંગ્રેસના ધારાસભ્ય પનોમ બ્રોજેન સિંહનું રાજીનામું સ્વીકાર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં સૌ પ્રથમ ધ્વવંદન કરશે બસ્સો પંદર પોલીસ કર્મચારીઓને શૌર્ય અને સાહસ માટે પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે વીસ મી ઓગસ્ટે તારીખે પ્રશાંત ભૂષણને સજા જાહેર કરવામાં આવશે અને તે અંગેની દલીલોની સુનાવણી કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે ચુમોતેર માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કોવિડના રોગચાળાને પહોચી વળવામાં સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નોમાં નાગરિકોના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી લોકોમાં તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે ત્યારે કોવિડ પ્રોટોકોલને અનુસરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી ફીટ ઈન્ડિયા ઝુંબેશને મજબૂત કરવા અને નાગરિકોને જીવનપદ્ધતિ તરીકે તંદુરસ્તી અપનાવવા માટેનો આ એક પ્રયાસ છે આ સમારોહ માટે આશરે ચાર હજાર જવાનો તૈનાત કરવામાં આવશે અને તેઓ સામાજિક અંતર જાળવવા ઊભા રહેશે રમતફીટ ઈન્ડિયા રમતગમત મંત્રી કિરેન રિજિજુએ આજે દેશવ્યાપી સૌથી મોટી દોડ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત કરી છે અત્યાર સુધી દેશમાં કોરોનાના કારણે એક લાખ સિત્તેર હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને પંચોતેર હજારથી વધુ કોવિડ પોઝિટિવ લોકો સાજા થયા છે કોવિડ સંક્રમણને વધતુ અટકાવવા પાંચ એપ્રિલથી લાગુ કરાયેલા લોકડાઉન અંતર્ગત બાંગ્લાદેશમાં સ્થાનિક ઉડ્ડયનો પર પહેલાથી જ પ્રતિબંધ મુકાયો છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે રજાના દિવસે પણ પિસ્તાલીસ હજારથી વધુ રસીકરણ કેનોયો કાર્યરત હતા સૂચિત એપમાં સંસ્કૃતનું શિક્ષણ વાતચીત દ્વારા સરળતાથી આપવામાં આવશે સ્પર્ધાની પહેલી મેચમાં પણ ભારતે અર્જેન્ટીના સામે બત્રીસથી વિજય મેળવ્યો હતો આમ છતાં ઘણી જગ્યાએ એક સો દસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગઈકાલે ઓગણત્રીસ લાખ તેત્રીસ હજારથી વધુ કોવિડની રસી આપવામાં આવી હતી દરમિયાન તેલંગાનામાં ગઈકાલે એક જ દિવસે સત્તાણું હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી વહિવટીતંત્રે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી છે આ પૈકી પચ્ચીસ લાખથી વધુ લોકોને પહેલો ડોઝ જ્યારે બે લાખ બાવીસ હજારથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે આ સાથે રાજ્યમાં કોવિડના કેસોની સંખ્યા વધીને ત્રણ લાખ ઓગણત્રીસ હજારથી વધારે થઈ છે દેશમાં એક લાખ અડસઠ હજારથી વધુ કોવિડનાં કેસ ગઈકાલે નોંધાયા હતા તો નવ સો ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં ઈન્દિરા શુભારંભ થશે જોકે ચાર્ટડ કાર્ગો એર એમ્બુલન્સ અને વિશેષ ઉડાનો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં ભારતે બુનોસ એર્સમાં રમાયેલી હોકી પ્રોલીગની બીજી મેચમાં ઓલમ્પીક ચેમ્પીયન અર્જેન્ટીનાને ત્રણ શૂન્ય ગોલથી પરાજય આપ્યો છે જયારે શ્રી અમિત શાહે ઉત્તર બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે.